પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના જીવન આધારીત ચલચિત્રને ઓગણિસ મે સુધી રજુ કરતું અટકાવવાના ચૂંટણીપંચના નિર્ણયમાં દખલ કરવા સર્વોચ્ચ અદાલતે ઇન્કાર કર્યો. તેમાં દરભંગા ઉજીયારપુર, સમસ્તીનગર, બગસરાઈ અને મુંગેર બેઠકોનો સમાવેશ થાય છે. સજાનું એલાન હવે ત્રીસમી એપ્રિલના રોજ થશે. કોંગ્રેસ પ્રમુખ રાહુલ ગાંધીએ આજે બિહારના સમસ્તીપુરમાં કોંગ્રેસ અને રાષ્ટ્રીય જનતા દળની સંયુક્ત રેલી યોજી હતી. મુખ્ય ન્યાયમૂર્તિ રંજન ગોગોઈની અધ્યક્ષતાવાળી પીઠે જણાવ્યું હતું કે ચૂંટણી પંચે આ ફિલ્મને આ સમયે પ્રદર્શિત કરવી જોઈએ કે નહીં તે અંગેનો નિર્ણય લીધો છે, અને અદાલત તે ઉપર પોતાનો અભિપ્રાય આપવા ઈચ્છતી નથી. ચોથા તબક્કામાં બિહારની પાંચ બેઠકો માટે સોમવારે મતદાન થશે. સર્વોચ્ચ અદાલતે આજે ઓગણીસ મે સુધી પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની જીવન કથા દર્શાવતી ફિલ્મના પ્રસારણ ઉપર પ્રતિબંધ મુકતા ચૂંટણી પંચના આદેશમાં હસ્તક્ષેપ કરવાની મનાઈ ફરમાવી છે. સરકારમાં પાંચ વર્ષનું કોઇ પરિણામ મળ્યું નથી. ફિલ્મ નિર્માતા તરફથી હાજર રહેલા વકીલે પીઠને જણાવ્યું હતું કે, એક ચૂંટણી પંચનો આદેશ સેન્ટ્રલ બોર્ડ ઓફ ફિલ્મ સર્ટિફિકેશન દ્વારા આપવામાં આવેલી મંજુરીથી વિપરીત છે. પોલીસથી બચવા નારાયણ સાંઈ ભૂગર્ભમાં ઊતરી ગયેલો, પરંતુ દિલ્હી પંજાબ બોર્ડર ઉપરથી ચોથી ડિસેમ્બર બે હજાર તેર ના રોજ તેને પકડી લેવામાં પોલીસ સફળ થઈ હતી. ગયા જાન્યુઆરીમાં અદાલતે રીઝર્વ બેન્કના આદેશની અવમાનના માટે નોટીસ પાઠવી હતી, અને તેમાં બેન્કોના વાર્ષિક નીરિક્ષણ અહેવાલના અમલ માટે આદેશ આપ્યો હતો. કોંગ્રેસે આક્ષેપ કર્યો છે કે શ્રી મોદીએ કહ્યું કે, ખેડૂતો અને મહિલા સ્વયં સહાય જૂથો તેમનાં ઉત્પાદનો ઓનલાઇન વેચી શકે તે માટે ઇ-માર્કેટીંગ જેમ શરુ કરાયું છે. રાજસ્થાનની તેર બેઠકો માટે પણ મતદાન થવાનું છે. કોંગ્રેસે દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના નેતા અરવિંદ કેજરીવાલ સામે ચૂંટણીપંચ સમક્ષ ફરીયાદ નોંધાવી છે. નેહલ ઠક્કર ભાજપ બેઠક ગાંધીનગર ખાતે ભાજપના પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ગઈકાલે પણ યોજાઈ હતી, જેમાં પ્રદેશ પ્રમુખ અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ ચાર હજાર ચાર સો અઢાર લોકોના મૃત્યુ થઈ ચૂક્યા છે. ગઈકાલે બાંગ્લાદેશના રામગઢ અને દક્ષિણ ત્રીપુરાના સબરૂમને જોડતી ફેની નદી પર મૈત્રી સેતુનું ઉદઘાટન કરતાં પ્રધાનમંત્રીએ કહ્યું કે, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે આ વિસ્તાર વેપાર કોરિડોર તરીકે વિકસિત થઈ રહ્યો છે. બત્રીસ ટકા થયો છે. નેહલ ઠક્કર લખપતબી એસ.એફ. કેમ્પ ખાતે રસીકરણ. દેશભરમાં હાલ રસીકરણ અભિયાન ચાલી રહ્યું છે. ત્યારે સામાન્ય લોકોની સાથે દેશના સૈનિકોને કોરોનાથી રક્ષણ આપવા માટે રસી આપવામાં આવી રહી છે. પશ્ચિમ કચ્છના છેવાડાના લખપત તાલુકાની આંતરરાષ્ટ્રીય સરહદ પર દેશની રક્ષા કરતા બોર્ડર સિક્યોરિટી ફોર્સના એક સો સાત જેટલા જવાનોને આજે મંગળવારે લખપત કેમ્પ ખાતે ઘડુલી આરોગ્ય કેન્દ્રના સ્ટાફ દ્વારા કોરોના વિરોધી રસી આપવામાં આવી હતી.